એક દિવસ એક હરણ તેના દીકરાને એક બુદ્ધિશાળી હરણ પાસે લઈ ગયો,અને તેને કહ્યું, "મારા બુદ્ધિશાળી ભાઈ, કૃપા કરીને મારા દીકરાને પણ તેનો જીવ બચાવવા માટે કેટલીક યુક્તિઓ શીખવો, જેથી જો તે ક્યારેય મુશ્કેલીમાં આવે તો તે તેનો જીવ બચાવી શકે. " મોટા હરણ સંમત થયા. નાનું હરણ ખૂબ જ દુષ્ટ હતું અને તેનું મન અન્ય બાળકો સાથે રમવામાં વ્યસ્ત હતું. ટૂંક સમયમાં, તે વર્ગમાંથી ગુમ થવા લાગ્યો અને બચાવની કોઈ યુક્તિઓ શીખી નહીં. એક દિવસ, રમતી વખતે, નાનો હરણ એક જાળમાં ફસાઈ ગયો,અને મુર્ત્યુ પામ્યો. જ્યારે તેની માતાને આ વિશે ખબર પડી, ત્યારે તે ખૂબ જ રડી અને, મોટો હરણ તેની પાસે ગયો અને તેને કહ્યું, "પ્રિય બહેન,મને દિલગીર છે કે તમારું બાળક જાળમાં ફસાઈ ગયું. મેં તેને શીખવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે કંઈ શીખવા માંગતો ન હતો. એક દિવસ એક ગરીબ માણસ એક ખેડૂત પાસે ગયો અને તેને એક મરઘી આપીને તેના બદલા માં ચોખાની એક બોરી લાવ્યો. જ્યારે ખેડૂતની પત્નીને આ વાત ની ખબર પડી કે, તેના પતિએ એક સાદી મરઘીના બદલામાં ચોખાની એક બોરી આપી દીધી છે, ત્યારે તે ખૂબ ગુસ્સે થાય હતી. જોકે, બીજા દિવસે સવારે ખેડૂતની પત્ની મરઘી પાસે ગઈ અને તેને સોનાનું ઈંડું મળ્યું. જાદુઈ મરઘી દરરોજ સોનેરી ઇંડા આપવાનું શરૂ કરે છે. આ ઘણા અઠવાડિયા સુધી ચાલ્યું. ટૂંક સમયમાં ખેડૂત ગામનો સૌથી ધનિક માણસ બની ગયો. જોકે, ખેડૂતની લાલચુ પત્ની આથી સંતુષ્ટ નહોતી. એક દિવસ જ્યારે ખેડૂત ઘરે ન હતો, ત્યારે તે એક મોટી છરી લાવી ને અને મરઘીનું પેટ કાપી નાખ્યું. તે વિચારી રહી હતી કે મરઘીના પેટમાંથી બધા સોનેરી ઇંડા ભેગા થશે. જ્યારે તેને એક પણ ઇંડુ ન મળ્યું ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ. હવે તેને જે રોજ ઈંડા મળતા હતા, તેણે પણ તેના હાથમાંથી ગુમાવ્યા. એકવાર એક ખેડૂત નદીના કિનારે બકરી, ચારાનો ભારો અને સિંહ સાથે ઉભો હતો. તેને બોટ દ્વારા નદી પાર કરવાની હતી પરંતુ બોટ એટલી નાની હતી કે તે તેના તમામ સામાન સાથે એક જ સમયે પાર કરી શકતી ન હતી. જો તે સિંહને પહેલા લઈ જાય અને તેને નદી પાર છોડી દે, તો અહીં બકરી ઘાસ ખાશે અને જો તે પહેલા નદી પાર ઘાસ લેશે તો સિંહ બકરીને ખાશે. છેવટે તેણે એક ઉપાય શોધી કા્યો. તે બકરીને પોતાની સાથે લઈ ગયો અને તેને એક બોટમાં નદી પાર છોડી દીધી. આ પછી, બીજા રાઉન્ડમાં, તેણે સિંહને નદી પાર છોડી દીધો પરંતુ પરત ફરતી વખતે તે બકરીને પોતાની સાથે પાછો લાવ્યો. આ વખતે તેણે બકરીને આ બાજુ છોડી અને બીજી બાજુ સિંહ સાથે ઘાસનું પોટલું છોડી દીધું. આ પછી તે ફરીથી બોટ લાવ્યો અને બકરીને પણ સાથે લઈ ગયો. આમ, તેણે નદી પાર કરી અને કોઈ નુકશાન ન થયું.